ઓસ્ટ્રેલીયામાં કાંગારૂ હોય છે. માદા કાંગારૂ પેટની કોથળીમાં બચ્ચાને રાખતી હોય છે. જુલ્લુ મોનુને એન્ટારટીકા ખંડ જોવા પણ લઇ ગયું. દક્ષિણ ગોળાર્ધમાં એન્ટારટીકા ખંડ આવેલો છે. એન્ટારટીકા ખંડ સૌથી ઠંડો, સુકો અને તેજ પવનો વાળો પ્રદેશ છે. ત્યાં મનુષ્યોનો કોઈ કાયમી વસવાટ નથી. પરંતુ જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો સંશોધન કરવા આવતા હોય છે જેના માટે સંશોધન પ્રયોગશાળાઓ બનાવેલી છે. પેંગ્વિન, બ્લ્યુ વ્હેલ, સીલ એ એન્ટારટીકા ખંડના રહેવાસીઓ છે. પેંગ્વિન ઉડી નથી શકતાં. એ સમૂહમાં રહેનારા છે. તેઓ હજારોની સંખ્યામાં જોડાં બનાવીને મોટા સમૂહમાં રહેતાં હોય છે. આ સજીવોની વસ્તી વિલુપ્ત ન થઇ જાય એના માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આમ મોનુએ એના સપનામાં જુલ્લુ સાથે સાત સમંદર પારની સફર કરીને જુદા જુદા ખંડોના દેશો જોયા, ત્યાંની અજાયબીઓ જોઈ અને વિવિધ જીવસૃષ્ટિ જોઈ. સમુદ્રની દુનિયામાં મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે. એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે! જેલી ફીશ એ ડાઇનોસોર અને શાર્ક કરતાં પણ પહેલેથી અસ્તિત્વ ધરાવે છે. જેલી ફીશ એ માછલી નથી પણ એક દરિયાઈ જીવ છે. પૃથ્વી પર પેસિફિક , એટલાન્ટીક, હિન્દ, એન્ટારક્ટીક , આર્કટીક મહાસાગર આવેલા છે. સમુદ્રના ઊંડા પાણીમાં મોટા ભાગનો સૂર્યપ્રકાશ પાણીમાંના ઓક્સીજનને લીધે ફેલાઈ જાય છે અને આમ ભૂરા રંગને પણ ફેલાવે છે.